પોતે નાનકડી બાર વરસની પાયલ પહેરી વનમાં કહ્યાં વગર બહાર નીકળેલી અને એક ઝરખ તેની પાછળ પડ્યું. બહુ દોડી ન શકતાં તે લથડીને નીચે પડી, તેનાં ઘૂંટણે વાગતાં લોહી નીકળતું હતું. તે લોહી જોતાં જ ઝરખ તેને પીવા જીભ લબડાવી રહ્યુ હતો જેવું ઝરખ તેનાં પર તરાપ મારે તે પહેલાં જ સનનન કરતું એક તીર તેનાં પંજા પર વાગ્યું. ફરી દર્દથી તે ખિજાયું, આમતેમ જોઈ પાછું કોમળ બાળકીનું લોહી જોઈ પોતાનાં પર કાબુ ન રાખી શકતું હોય તેમ ખતરાને અવગણીને ઝરુખે પંજો ઉગામ્યો અને તરતજ બીજું તીર સનનન કરતું તેનાં બીજા પગને ઘાયલ કરી તે બંનેની વચ્ચે ખોડાઈ ગયું. હવે ઝરખ ગભરાયું અને તે સાથે જ બીજા બે બાણ આ બાળકીનાં આડા આવીને ખોડાઈ ગયાં. ઝરખને વઘુ લોહી નીકળતું હોવાથી હવે તે બાળકી વસુંધરાને પણ હિંમત આવેલી તે એક તીર પકડી ઝરખને બોલી,"આવી જા હવે, તારાથી ડરતી નહીં, હું વનની રાજકુમારી છું." ઝરખ જાણે વસુંધરાથી ગભરાયું હોય તેમ ભાગી ગયું અને જાંબુના ઝાડ પરથી કોઈ બાળકનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. વસુંધરાએ ઉપર જોતાં તે બોલ્યો,"ઝરખ બિચારો છોકરીથી ડરીને ભાગી ગયો," કહી તેને ઉપરથી જાંબુ બાળકી વસુંધરાની પર ફેંક્યા. વસુંધરાએ વીણીને તે ચાખ્યાં, બહુ મીઠા હતાં. તે ઉપર જોઈ પેલાને બોલી,"મને બહુ ભાવે જાંબુડા, બીજા આપ ને." પેલો બાળક થોડાં વીણીને ફેંકવા લાગ્યો. બાળકી તેને બતાવતી રહી તે ડાળીએ જતાં તે પાતળી ડાળી તૂટી અને આ બાળક ડાળી સાથે નીચે લબડયો. જમીનથી થોડો ઉપર લટકી રહયો હતો. તેને જોઈ વસુંધરાએ હિંમત કરી ઉભી થઈને બોલી,"ડરતો નહીં હું તને પડવા નહીં દવ. લે મારાં માથે પગ મૂકીને ઉતરી જા," કહીને બાળકી નીચે ઉભી રહી. પણ પેલો લટકેલો બાળક બોલ્યો,"અરે સુંદર વનપરી! હું પણ રાજકુમાર છું. નાનું તોય સાવજનું બાળ. હું ડરતો તો કોઈના બાપથી નથી. તું ખસી જા આઘી! મને કોઈનો ઉપકાર ન જૉઈએ." બાળકી બોલી," એ ગાંડા હવે તો અપડે બે મિત્રો છીએ. જો તે મારો જીવ બચાવ્યો અને હું તારી મદદ કરવા આવી મને પગમાં વાગ્યું છે તોય." પેલા લટકતાં બાળકે જોયું અને બોલ્યો,"અરે રે, તારા ઢીંચળે તો લોહી નીકળે છે. આઘી ખસ. હું નીચે પડીને તને ઔષધિ લગાવી પાટો બાંધી દવ." પણ જીદ્દી વસુંધરા ન માંની, આખરે થાકીને પેલા બાળકે તેનાં માથે પગ મૂકીને ધીરેથી ઉતરી ગયો. વસુંધરા ખુશ થઈ બોલી,"તું બહુ જ બહાદુર છે. હવે હું તને રાજા કહીશ.